આ બધાં ઉદાહરણો સાપેક્ષ જોખમોનાં છે, અને છાપાનાં લેખોમાં આને સામાન્ય રીતે દર્શાવાય છે. જોખમની ગણતરી એ આંકડાકીય વિચાર અને વ્યક્તિત્વ પસંદગીની જટિલ ગણતરી છે. આવાં સાપેક્ષ જોખમો અને નિરપેક્ષ જોખમો વચ્ચેનો તફાવત એક અડચણ છે. જોખમ એક ઘટના ધ થવાની સંભાવના છે. એને કાં તો ટકા રૂપે દર્શાવાય-- જેમકે સાઠ સાઠ અને સિત્તેર વર્ષની ઉંમરના પુરુષોમાં અગિયાર ટકા હાર્ટ અટેક થાય છે. અથવા તો એને દર રૂપે દર્શાવાય- જેમકે ઑસ્ટ્રેલિયાના પશ્ચિમી તટ પર વીસ લાખમાંથી એક જણાને શાર્ક કરડશે. આ આંકડાનો આંકડાતો તમને હાર્ટ અટેકનું ખરેખર જોખમ અને શાર્કના હુમલાનું જોખમ જણાવશે. જોખમમાં થતો ફેરફાર કોઈ સાપેક્ષ કે નિરપેક્ષ પદમાં દર્શાવાય છે. આ નિરપેક્ષ જોખમમાં ઘટાડો લગભગ ઝીરો પોઈન્ટ વન ટકા હતો. પરંતુ સાપેક્ષ રીતે જોઈએ તો મૃત્યુદર માં પાંચ થી ઘટાડો ચાર થયો એટલે કે વીસ ટકા ઘટાડો થયો. આ અહેવાલોના ઉંચા આંકડાને આધારે લોકોએ સ્ક્રીનિંગની અસરને ઓવરએટીમેટ કરી દીધી. આ બંને રીતના જોખમોને દર્શાવવાના તફાવતને સમજવા માટે એક કાલ્પનિક દવાનું ઉદાહરણ લઈએ જે કેજે હાર્ટ એટેકના જોખમને ચાલીસ ટકા ઘટાડે છે. ધારો કે લોકોનું એક જૂથ છે, જેમને નવી દવા લીધી નથી અને તેથી દસ ને અટેક આવ્યો. નિરપેક્ષ જોખમ હજાર માં થી દસ એટલે કે એક ટકા છે. જો એવું જ એક જણા જૂથમ હોય કે જેણે દવા લીધી છે તો અટેકની સંખ્યા છ થઇ જશે. બીજા શબ્દોમાં, દવા દસ માં થી ચાર અટેક ઓછા કરી દેશે; એટલે કે સાપેક્ષ રીતે ચાલીસ ટકા નો ઘટાડો થઇ જશે. જ્યારે, નિરપેક્ષ ઘટાડો એક ટકા થી માત્ર ઝીરો પોઈન્ટ છ ટકા થઇ ગયો. પણ સાપેક્ષ ઘટાડો કે જે ચાલીસ ટકા થયો તે અગત્યનો છે. ચોક્કસપણે અમુક હાર્ટ એટેકને નિવારવા અથવા તેની નકારાત્મક અસરો ગણકારવા જેવી છે? જરૂરી નથી. સમસ્યા એ છે કે આ પસંદગીઓ કે જે અમુક જોખમો ઓછા કરે છે તે તમને બીજી સમસ્યા મૂકી શકે ધારોકે હાર્ટ અટેકની દવાઓએ એક ટકા ના અડધાં દર્દીમાં કેન્સર કરી નાખ્યું. તો આપણા જણાનાં સમૂહમાં ચાર એટેકને તો આપણે દવાથી રો રોકી દઈશું પણ કેન્સરના પાંચ નવા કેસ થઇ જશે. હાર્ટ એટેકમાં થતો આ સાપેક્ષ ઘટાડો ભલે મહત્વનો લાગતો અને કેન્સરમાં થતો વધારો ભલે નાનો લાગતો. પણ તે લગભગ સમાન કિસ્સામાં કામ કરે છે. ખરેખર જિંદગીમાં આ જોખમની ગણતરી વ્યક્તિગત કિસ્સામાં બદલાય છે અને તે વ્યકિગત પરિબળો પર પણ નિર્ભર છે. જો તમે હ્ર્દય રોગના દર્દીના પરિવારની મેડિકલ હિસ્ટ્રી જાણતા હોવ તો તમે પ્રોત્સાહિત થઈને દવા આપશો કે જો જે હાર્ટ એટેકનું જોખમ ઓછું કરશે, અન તમને ખબર છે કે તે જોખમમાં બહુ જ ઓછો ઘટાડો કરે છે. કેટલીક વાર, આપણે